પીપલ્સ કોન્ફરન્સે માં છોડ્યા પછી, તેની સંખ્યા ઘટીને વન હંડ્રેડ ટૂ થઈ ગઈ છે. માં, કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ અને કાશ્મીર પ્રોગ્રેસિવ આઝાદ ડેમોક્રેટિક પાર્ટી ની રચના કરી. પંચે વર્ષ ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી ટૂમાં તેનો અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો. પંચે જમ્મુ વિભાગમાં વિધાનસભા બેઠકોની સંખ્યા થર્ટી સેવન થી વધારીને ફોર્ટી થ્રી અને કાશ્મીરમાં ફોર્ટી સિક્સ થી વધારીને ફોર્ટી સેવન કરવાની ભલામણ કરી હતી. આયોગે નામાંકન દ્વારા પીઓકેમાંથી બે કાશ્મીરી હિંદુઓ અને એક વિસ્થાપિત વ્યક્તિને લાવવાનું પણ સૂચન કર્યું હતું. મતદાન, ક્વોટા અને વિરોધ ડીડીસી ચૂંટણીના સફળ સંચાલન અને સીમાંકન પૂર્ણ થવાથી, વહેલી વિધાનસભા ચૂંટણી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા યુટીમાં કાર્યકરોને તૈયારીઓ શરૂ કરવા માટે વારંવારની સલાહ દ્વારા આને વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી યોજાવાની શક્યતા ઓછી છે. ગઠબંધનના અનેક નેતાઓના સપના ચકનાચૂર, કોંગ્રેસની સોદાબાજી માટે શક્તિ વધી, રાહુલ માટે ચૂકાદો સંજીવની આ દરમિયાન, કેન્દ્રએ રાજ્યની એસટી સૂચિમાં ચાર નવા જૂથોનો સમાવેશ કરવા માટે લોકસભામાં બિલ રજૂ કર્યું છે. આનાથી કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય એસટી જૂથો, ગુર્જરો અને બકરવાલોએ ભારે વિરોધ કર્યો છે. આ સમુદાયનું માનવું છે કે, નવું બિલ તેમને રાજકીય રીતે નબળા બનાવી દેશે. ગુર્જર-બકરવાલ વિરોધીઓએ મંગળવારે જમ્મુ અને કાશ્મીર ભાજપના લઘુમતી મોરચાના વરિષ્ઠ નેતા સાથે મારપીટ કરી હતી. વિરોધીઓ સિક્સ અને સેવન ઓગસ્ટે જમ્મુ અને રાજૌરીમાં રેલીઓ યોજવાના છે. આ દરમિયાન, 'પહારી સમુદાય', જે બિલના લાભાર્થી જૂથોમાંનો એક છે, કાયદાના સમર્થનમાં કૂચ કાઢવાનું આયોજન કરી રહ્યું છે. મુખ્ય પસંદગીકાર બનતાની સાથે જ અજિત અગરકર એક્શનમાં આવી ગયા છે. તેમની નિમણૂકના ટ્વેન્ટી ફોર કલાકની અંદર ટીમની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝમાં થ્રી ઓગસ્ટથી શરુ થનાર શ્રેણીમાં હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. સૂર્ય કુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર ટીમમાં નવા ચહેરા છે. આ ઉપરાંત રવિ બિશ્નોઈ અને અવેશ ખાનની ટીમમાં વાપસી થઈ છે. વિકેટકીપર સંજુ સેમસન પણ કેએલ રાહુલ અને ઋષભ પંતની ઈજાના કારણે પરત ફર્યો છે. અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકની પણ પસંદગી કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ગયા મહિને ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં મળેલી હાર બાદ ભારતે ટેસ્ટ સેટઅપ માટે કેટલાક નવા ચહેરાઓને સામેલ કરીને કેટલાક મોટા નિર્ણયો લીધા હતા.